અમરજીતે આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના ગ્રેજ્યુએટ પિતા નોકરી ન મેળવા મળવાને કારણે છોટી નાઈની દુકાન ચલાવે છે. તેમના ઘરમાં ભોજન બનાવા માટે ગેસ પણ ન હતો. અમરજીત જણાવે છે કે તેણે એક ગાવાના કાર્યક્રમમાંથી છ હજાર રૂપિયા કમાયા અને પછી ગેસના ચૂલાની વ્યવસ્થા કરી. અમરજીતનો ગાવાનો શોખ જોઈને પરિવારના સભ્યો જે પહેલા ગુસ્સે હતા તેઓ પણ તેને સાથ આપવા લાગ્યા છે. પોતાના ટ્વિટર પર ફોટો શેર કરતા અમરજીતે લખ્યું જેના કારણે મને આખા ભારતમાં થોડી ઓળખ મળી છે, તેનું કારણ તમે છો સોનુ સૂદ સર. અમરજીતની આ તસવીર અભિનેતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે- ભાઈ બિહારનું નામ ઉંચું કરશે. તમારા એકાઉન્ટનો પાસવર્ડ આ પ્રકારનો રાખો- કોઇપણ ક્યારેય હેક નહી કરી શકે. આજ નો યુગ ડિજીટલ છે. ડિજીટલ દુનીયા માં તમારે અનેક પાસવર્ડ યાદ રાખવા પડે છે. જેમ કે વાઈ-ફાઈ પાસવર્ડ, બેંક એકાઉન્ટ ના પાસવર્ડ,ફેસબુક અને ટ્વીટર જેવી વેબસાઈટ ના પાસવર્ડ, કોમ્પ્યુટર ના પાસવર્ડ વગેરે અનેક જાત ના પાસવર્ડ રાખવા પડે છે. હેકર સૌથી પહેલા તમારો પાસવર્ડ જાણવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે તમારા પાસવર્ડ ને સુરક્ષીત અને સ્ટ્રોંગ બનાવી શકો છો. ઓનલાઈન હેક થવા પાછળ નું સૌથી મોટું કારણ હોય છે પાસવર્ડ ને એકદમ સરળ હોય છે. જે કોઈ પણ હેકર સરળતાથી વિચારી શકે છે અથવા સોફ્ટવેર ની મદદ થી જાણી શકે છે. તો સૌથી પેહલા તમારા પાસવર્ડ ને સુરક્ષીત કરો. આ માહિતી તમારા મિત્રોને શેર પણ કરજો જેથી તેઓ પણ પોતાના એકાઉન્ટ સિકયોર રાખે. પાસવર્ડ કેવી રીતે હેક થાય છે? પાસવર્ડ હેક થવાનું સૌથી મોટું કારણ છે નબળો પાસવર્ડ રાખવો.